ગાયનની કોઈ ઔપચારિક તાલીમહોવા છતાં, તે ધાર્મિક કાર્યક્રમોમાં પરફોર્મ કરતી હતી. તેણીએ ઈન્ડિયન આઈડલ રિયાલિટી શોમાં સ્પર્ધક તરીકે પ્રવેશ કર્યો હતો અને હવે તે તેના આદરણીય જજ છે. સિંગિંગ રિયાલિટી પ્રોગ્રામમાં નેહા સ્ટારડમમાં ઉભરી આવી, અને ત્યારથી, તેણે પાછું વળીને જોયું નથી. હોશિયાર ગાયકની દ્રઢતા અને મહેનત રંગ લાવી છે. નેહા કક્કર હવે ઋષિકેશ અને મુંબઈમાં મોંઘા મકાનો ધરાવે છે. ઋષિકેશમાં સાધારણ ભાડામાં રહેવાથી માંડીને સંખ્યાબંધ મકાનોની માલિકી સુધી તેણીએ ચોક્કસપણે લાંબો રસ્તો કાઢ્યો છે. નેહા કક્કર ઓગસ્ટ માં ચંદીગઢમાં તેના પતિ, પંજાબી સંગીતકાર રોહનપ્રીત સિંહને મળી, અને તેના પ્રેમમાં પડી. ઓક્ટોબર, ના રોજ, તેઓના લગ્ન નવી દિલ્હીના ગુરુદ્વારામાં થયા હતા, અને હાલમાં, તેઓ બંને તેમના મુંબઈના ભવ્ય મકાનમાં રહે છે. ઘરનો અદભૂત બાહ્ય દેખાવહકીકતનો પુરાવો છે કે નેહા કક્કરના ઋષિકેશ ઘરનું આંતરિક ભાગ સંપૂર્ણપણે અનોખું હશે. અમે ઓનલાઈન ફરતા ઓછા ફોટા અને વિડીયોમાંથી પરી વ્હાઇટ હવેલીમાંથી થોડાં સ્થાનો એકસાથે શોધી શકીએ છીએ. નેહા કક્કરના ઘરનું કેન્દ્રબિંદુ કાચની પેનલોવાળી અદભૂત સીડી છે. વોટરફોલ ઝુમ્મર પછી ધ્યાન ખેંચે છે કારણ કે તે કક્કર પરિવાર દ્વારા ઉપયોગમાં લેવાતા પોઝ માટે આદર્શ પૃષ્ઠભૂમિ બનાવે છે. જગ્યા આધુનિક ટપકાંવાળા પ્રકાશ ઉચ્ચારો સાથે ખોટી છત દ્વારા પ્રકાશિત થાય છે. સીડીની સમાંતર લાઇનમાં ઘણા ફોટોગ્રાફ્સ છે.